– બ્રિગેડિયર સૂર્યદેવ સિંહ, તિરંગા ભવાની સિંહ કો બુઝદિલ કોઈ કહ નહીં સકતા! આત્મા બહ નહીં ગઈ ચંદન, આત્મા લૌટ આઈ હૈ. ઔર અબ ઐસે માલૂમ હોતા હૈ કિ બુઝદિલ હમ પહેલે થે. બુઝદિલી કા વો ચોલા આજ હમને ઉતારકર ફેંક ડાલા. યે કૌન સી બહાદુરી હૈ કિ દિન કે ઉજાલે મેં નિકલે તો ભેસ બદલ કર. સોઓ તો બંદૂક કો તકિયા બના કર. ચંદન, ન ઘર ન બાર, હવા કા મામૂલી સા ઝોકા ચૌકા દેતા હે ઔર ગભરાકર ઐસે બૈઠતે હૈ કી પુલિસ કી ગોલી થી. ઇન ગુમરાહ ખંડરો કો છોડકર ચલ મેરે સાથ, ઇંસાનો કી બસ્તી મેં ચંદન, ચલ. – ઠાકુર ભવાની સિંહ, ધરમ કાંટા ચલો યહાં સે યે કિસી દલદલ પર કોહરે સે બની હુઈ હવેલી હૈ જો કિસી કો પનાહ નહીં દે સકતી, યે બડી ખતરનાક જગહ હૈ. – સલીમ અહમદ ખાન, પાકીઝા તાકત પર તમીઝ કી લગામ ઝરુરી હૈ, મગર ઇતની નહીં કિ બુઝદિલી બન જાએ. – રાજેશ્વર સિંહ, સૌદાગર બોટિયાં નોચને વાલા ગિદડ, ગલા ફાડને સે શેર નહીં બન જાતા. – રાણા, મરતે દમ તક હમ આંખો સે સુરમા નહીં ચુરાતે, હમ આંખે હી ચુરા લેતે હૈ. – બ્રિગેડિયર સૂર્યદેવ સિંહ, તિરંગા હમને દેખે હૈ બહુત દુશ્મની કરને વાલે, વક્ત કી હર સાંસ સે ડરને વાલે. જિસકા હરમ-એ-ખુદા, કૌન ઉસે માર સકે, હમ નહીં બમ ઔર બારુદ સે મરને વાલે. – સાહબ બહાદુર રાઠૌડ, ગૉડ એન્ડ ગન યે બચ્ચો કે ખેલને કી ચીઝ નહીં, હાથ કટ જાયે તો ખૂન નિકલ આતા હૈ. – રાજા, વક્ત ઇરાદા પૈદા કરો ઈરાદા, ઇરાદે સે આસમાન કા ચાંદ ભી ઇંસાન કે કદમો મેં સજદા કરતા હૈ. – પ્રોફેસર સતીશ ખુરાના, બુલંદી કૌવા ઊંચાઈ પર બૈઠને સે કબૂતર નહીં બન જાતા મિનિસ્ટર સાહબ! યહ ક્યા હૈ ઔર ક્યા નહીં હૈ, યહ તો વક્ત હી દિખલાએગા. – જગમોહન આઝાદ, પુલિસ પબ્લિક યે તો શેર કી ગુફા હૈ. યહાં પર અગર તુમને કરવટ ભી લી તો સમજો મૌત કો બુલાવા દિયા.